તેથી તે સમયે તેના પરિવારે મને મંજૂરી આપી તેના જન્મની તસ્વીર માટે અને તે ખરેખર એક શાનદાર વસ્તુ હતી જ્યારે નર્સે ગબીની છાતી પર બેબી એલિઝાબેથને મૂકી. તે પરિવારની પ્રથમ અમેરિકન નાગરિક હતી. તે છોકરી આજે સેવેનટીન વર્ષની છે અને હું હજી પણ લુપે સાથે ગાઢ સંપર્કમાં છું અને તેના પરિવારનો ઘણો ભાગ. મારું કામ મારા પોતાના કુટુંબના ઇતિહાસમાં નિશ્ચિતરૂપે છે અમેરિકામાં દેશનિકાલ અને ત્યારબાદ પુનર્જન્મ માટે. મારા પિતાનો જન્મ નાઝી જર્મનીમાં થયો હતો. મોટાભાગના આત્મસાત જર્મન યહૂદીઓની જેમ, મારા દાદા દાદીને સરળ આશા હતી કે ત્રીજા રીકની મુશ્કેલીઓ ઉપર તમાચો આવશે. પરંતુ વસંત ઋતુમાં એક નાની પણ મહત્વની ઘટના મારા કુટુંબ સાથે થયી. મારા પપ્પાને એક પરિશિષ્ટની જરૂર હતી અને કારણ કે તે યહૂદી હતો, એક પણ હોસ્પિટલ તેના પર કામ કરશે નહીં. ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેના રસોડાના ટેબલ પર, કુટુંબના રસોડાના ટેબલ પર. સમજ્યા પછી જ ભેદભાવનો તેઓ સામનો કરે છે, મારા દાદા દાદી એ અત્યંત અપ્રિય નિર્ણય લીધો તેમના બે બાળકો ઇંગ્લેન્ડ માટે બંધનકર્તા તરીકે કિન્ડરટ્રાન્સપોર્ટ પર મોકલવા માટે. મારા પરિવારના અસ્તિત્વ એ મારી ઊંડી પ્રતિબદ્ધતાને માહિતગાર કર્યા છે આ સ્થળાંતર વાર્તા કહેવા માટે ઊંડી અને સંક્ષિપ્ત રીતે. ભૂતકાળ અને વર્તમાન હંમેશાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. લાંબા સમયથી ચાલતો વારસો યુ.એસ સરકારનો લેટિન અમેરિકામાં સમાવેશ વિવાદસ્પદ અને સારી રીતે લિખિત છે. સીઆઈએ સમર્થિત બળવા ગ્વાટેમાલામાં અર્બેન્સ, ઈરાન-કોન્ટ્રા કાંડ, અમેરિકાની શાળા, સાન સાલ્વાડોર ચર્ચના પગથિયા પર આર્કબિશપ રોમેરોની હત્યા આ જટિલ ઇતિહાસના બધા ઉદાહરણો છે, ઇતિહાસ જે અસ્થિરતા તરફ દોરી ગયો છે અને મધ્ય અમેરિકામાં મુક્તિ. સદભાગ્યે, ઇતિહાસ નિરંકુશ રીતે શ્યામ નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકો હજારો અને લાખોમાં લીધા. ખરેખર, ગૃહ યુદ્ધોમાંથી છટકી રહેલા શરણાર્થીઓની સેવેનટી અને એઈટીના દાયકાના પરંતુ તે સમયે હું દસ્તાવેજીકરણ કરતો હતો ગ્વાટેમાલામાં સ્થળાંતર માર્ગના અંતમાં, મોટાભાગના અમેરિકનોનો કોઈ જોડાણ નહોતો હિંસાના વધતા જતા સ્તરે, મધ્ય અમેરિકામાં મુક્તિ અને સ્થળાંતર. મોટાભાગના યુએસ નાગરિકો માટે તે ચંદ્ર પણ હોઈ શકે છે. ઘણા વર્ષોથી મેં ધીમે ધીમે સાથે મળીને કામ કર્યું ખેંચાયેલી જટિલ પઝલ મેક્સિકો દ્વારા મધ્ય અમેરિકાથી શિકાગોના મારા પાછળના વાડામાં. મેં લગભગ તમામ સરહદ નગરોને માર્યા બ્રાઉન્સવિલે, રેનોસા, મેકએલન, યુમા, કેલેક્સિકો રેકોર્ડિંગ વધારે સરહદનું લશ્કરીકરણ. દરેક વખતે જ્યારે હું પાછો ફર્યો, ત્યાં વધુ આધાર માળખું હતું.